પહેલાં લગ્નોમાં ફટાણાં ગવાતાં. એમાં ક્યારેક અભદ્ર કોમેન્ટ સાથે ગીતો ગવાતાં, તો ક્યારેક ચાબખા મારતાં ફટાણાં હોય. જેને અમારા મિત્ર બંસલ, 'મખમલ મેં લપેટ કે જૂતા મારના' કહે છે તેવું હોય. 'ઘરમાં નો'તી સોપારી તો શીદને તેડાવ્યા વેપારી મારા નવલા વેવાઈ' આ મખમલ લપેટીને મારેલું જૂતું કહેવાય. પણ કેટલીક જગ્યાએ હલકી ભાષામાં પણ એ વખતે કહેવાતું. હવે એ ફટાણાં બંધ છે. પણ હવે બૅન્ડવાજા અને માંડવામાં વાગતી 'ઑડિયો સિસ્ટમ' છે. તેમાં ગીતો વાગે છે, પણ ઘણી વાર ઢંગધડા વગરનાં. એક લગ્ન પ્રસંગમાં વરરાજા વરઘોડા સાથે મંડપમાં પ્રવેશ્યા. વરરાજા એકદમ કાળા… વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી હોય એટલી હદે કાળા. જેવા લગ્ન મંડપમાં વરરાજા પ્રવેશ્યા કે કેસેટ વાગવી શરૂ થઈ 'યે કાલા કૌવા કાટ ખાયેંગા… ' વરરાજા ઝંખવાણા પડી ગયા. સદાબહાર કલાકારની જેમ કેટલાંક ગીતો પણ સદાબહાર છે. 'યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા… ' આ ગીત પણ એ જ હરોળમાં છે એ સદાબહાર વરઘોડા ગીત છે. સાહેબ… તમે મને એક એવો વરઘોડો બતાવો જેમાં આ ગીત ન વાગ્યું હોય. હમણાં પરણી ઊતરેલો વિશ્વેશ કહે છે, "મારા વરઘોડામાં આ ગીત વાગેલું પણ મારા દાદાના વરઘોડામાં પણ આ જ ગીત બેન્ડમાં વાગેલું. " પેઢી દર પેઢી વરઘોડા વખતે 'યે દેશ હૈ વીર જવાનો કા' વાગે છે અને વાગશે, સિંદબાદ કહે છે, યુધિષ્ઠિરે આપેલા યક્ષના જવાબની શૈલીમાં કે અનેક લોકોને લગ્ન કરી બેહાલી ભોગવતા જોયા પછી પણ માણસો લગ્ન કરવા જઈ રહ્યા છે, તે જોયા પછી એ લોકોને 'વીર' કહેવા જોઈએ, જેથી લગ્ન વખતે 'યે દેશ હૈ વીર જવાનો કા' ગીત બેન્ડવાળા વગાડતા રહે છે. આ ગીત લખ્યું પાકિસ્તાન રિટર્ન શાયર સાહિર લુધિયાનવીએ, આટલાં બધાં લગ્નમાં વાગતા આ ગીતના શાયર કુંવારા હતા. પારકા છોકરાને જતિ કરવા તે આનું નામ. અમને કિશોરકુમાર પ્રિય છે. એણે ગાયેલું ગીત 'તૂં ઔરો કી' ગીત ઘણું સુંદર છે. પણ લગ્નમાં આ ગીત વાગે છે ત્યારે અયોગ્ય અને અસ્થાને લાગે છે. એક સજ્જનની પુત્રીનાં લગ્ન હતાં. હસ્તમેળાપ વખતે જ કેસેટ વાગવા માંડી, 'તૂં ઔરો કી ક્યું હો ગઈ! કલ તક તો હમારી થી… આજ ઔરો કી ક્યું હો ગઈ? ' લગ્નની ધમાલમાં હાજર રહેલા લોકોને આ ગીત તરફ ધ્યાન નહીં ગયું હોય, પણ અમારા અળવીતરા મગજમાં સુંદર ગીતના અસુંદર અર્થ નીકળવા માંડ્યા. કન્યાના મુખ ઉપર અમને અપરાધભાવ દેખાવા માંડયો. જાણે એ વિચારતી હોય 'મારી પોલ ખૂલી ગઈ. ' વરસો જૂની ફિલ્મ 'આન' ના એક ગીતનો તો મિમિક્રીના કાર્યક્રમોમાં ભરપૂર ઉપયોગ થઈ ચૂક્યો